બેલગ્રેડ સફેદ શહેર તરીકે પ્રખ્યાત છે. માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી. દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે. પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે. જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો નીકળે છે. ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે. સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે. હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે. હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે. શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા. મી. દૂર સુધી સંભળાય છે. અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે. વ્હેલ માછલીનું વજન આશરે વન ફિફ્ટી ટન જેટલું હોય છે. લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું ચલણ નહિ, પણ ફક્ત નોટોનું ચલણ ચાલે છે. ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી. ભારતમાં સહુથી ઓછો વરસાદ બિકાનેરમાં થાય છે. ભારતની સૌ પ્રથમ બેંકનું નામ 'બેંક ઓફ હિન્દુસ્તાન' હતું! દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં છે! દુનિયાની સૌથી પહેલી ટેલિફોન સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ હતી. ફક્ત ટ્વેન્ટીલોકો પાસે ફોન હતો. દુનિયામાં ગુલાબના ફૂલની કુલ સેવન નાઇન્ટી ટૂ જાત છે. દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું પેરિસ શહેર છે. દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ મૉસ્કોમાં આવેલી છે. દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન ન્યુયોર્કમાં આવેલું 'ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ' છે. પ્રાણી જગતનું સત્ય: એક ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે. કૂતરાનું આયુષ્ય વીસ વર્ષનું હોય છે. કાંગારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે. ગોકળ ગાય ત્રણ ચાર વર્ષ સુધી ઊંઘી શકે છે. બકરીઓની પગની ખરીમાં આવેલી ગાદી જમીન સાથે વૅક્યુમ ઊભું કરી ચોંટી જાય છે. આથી તે ઊભા પર્વત ચઢી શકે છે. નર ઘોડાને ચાલીસ દાંત હોય છે. દાંત પરથી તેની ઉંમરની અટકળ થાય છે. હાથી રોજ બસ્સો કિલો ખોરાક અને બસ્સો લિટર પાણી પીએ છે. માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લૅંસ હોય છે. સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધુ લાંબા હોય છે. કાનડિયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામાં ઊડીને જ પસાર કરે છે. તેઓ ઊડતાં ઊડતાં જ શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું કામ કરે છે. ડબલ ડેકર બસ કરતાં જિરાફ દોઢ મીટર વધુ ઊચું હોય છે, પણ એની ગરદનમાં માત્ર સાત હાડકાં હોય છે અને સ્વરતંતુ નબળા હોવાથી એનો કંઠ કામણ ગારો નથી. એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલાં